અનુષ્કા શર્મા ચાર વર્ષ પછી એકધા એક્સપ્રેસથી કમબેક કરી રહી છે: અનુષ્કા શર્માની ફિલ્મોની વાત કરીએ તો તે ઘણા સમયથી ફિલ્મની પડદા પારથી ગાયબ છે. તેની છેલ્લી ફિલ્મ 'ઝીરો' વર્ષ બે હજાર અઢાર માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તોણે એક વૈજ્ઞાનિક અને શાહરૂખ ખાનની પ્રેમિકાનું પાત્ર ભજવયું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. હવે ચાર વર્ષ બાદ અનુષ્કા શર્મા ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તે મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીનું પાત્ર ભજવતી જોવા મલશે. હવે અભિનેત્રીએ માલતીની લેટેસ્ટ તસવીર શેર કરી છે અને આ વખતે દીકરીનો ચહેરો પણ બથાવ્યો છે, જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ચોપરાએ તેની પુત્રીનો સૂતો ફોટો શેર કર્યો છે. તસવીરમાં માલતી સ્ટ્રોલરમાં સૂઈ રહી છે અને સફેદ સ્વેટર પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકા હંમેશા પોતાની દીકરીનો ચહેરો ઈમોજીથી છુપાવતી રહી છે, પરંતુ આ વખતે તેણે પોતાનો ચહેરો બતાવ્યો છે. જોકે એક્ટ્રેસે માલતીની આંખોને કેપથી ઢકી દીધી છે, પરંતુ તેનો અંડધો ચહેરો સ્પષ્ટપણો જોઈ શકાય છે. પોસ્ટ સાથે પ્રેમ વરસ વરસાવતા અભિનેત્રીએ લખ્યું, "મારો મતલબ" માલતીના સ્મિત પર ચાહકોનું દિલ પીઘલી ગયું: માલતીની આ તસવીર પ્રિયંકા ચોપરાના ફેન પેજ દ્વારા પણ શેર કરવામાં આવી છે, જ્યાં ચાહકોએ માલતી પર ઘણો પ્રેમ વરસાવ્યો છે. એટલો એટલોકે તેને ક્યૂટ કહી તો કેટલા કેટલાકે માલતીના હોઠને પાપા નિક જોનાસ જેવા ગણાવ્યા. માલતી સાથે પહેલી દિવાલી: પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ તેની પુત્રી સાથે તેની પ્રથમ દિવાલી ઉજવી હતી. અભિનેત્રીએ લોસ એન્જલસમાં તેના દિવાલી સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં સોનાસ પરિવાર મેચિંગ આઉટફિટ્સમાં જોવા મલ્યો હતો. પ્રેયન્કા અને માલતીએ ક્રીમ કલરના લહેંગા ચોલી પહેર્યા હતા, જ્યારે નિક જોનાસ કુર્તા પાયજામામાં દેખાયા હતા. આ દિવસે પુત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે આ વર્ષે બાવીસ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરોગસી દ્વારા માતાપિતા બનવા બનવાના નિર્ણયની જહેરાત કરી હતી.